અને વાત એ છે કે આ સ્થાનો વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોથી ભરેલા છે જેઓ સહયોગ માટે ભયાવહ છે અને સત્ય છે તે તેમના માટે તેમની પાસે અમારા કરતા સુરક્ષાના પ્રશ્નો ઓછા છે. મને લાગે છે કે આપણે સતત ભૂલીએ છીએ કે તેમના માટે તે પ્રતિકૂળ વાતાવરણ નથી. તેમના માટે તે ઘર છે. હું તમને કહી રહ્યો છું, અસ્થિર સ્થળોએ કરવામાં સંશોધન સ્થાનિક સહયોગીઓ સાથે અતુલ્ય શોધ કરી શકે છે અને તે જ આપણે છીએ સોકોત્રામાં આશા રાખીને. તેઓ સોસોત્રા કહે છે પૃથ્વી પરનું સૌથી પરાયું દેખાતું સ્થળ અને મારી જાત લિયોન મકેરોન, માર્ટિન એડ્સ્ટ્રોમ અને રાયસ થ્વેટ્સ-જોન્સ શા માટે જોઈ શક્યા. મારા મતલબ આ સ્થાન જુઓ. આ સ્થાન તેઓ હેલહોલ નથી, તેઓ લેખન નથી, તેઓ ભવિષ્યની ફ્રન્ટલાઈન છે. આ ટાપુ પરના નાઈન્ટી ટકા સરિસૃપ, વનસ્પતિ જાતિના થીરન્ટી સેવન ટકા અહીં અને પૃથ્વી પર ક્યાંય નહીં અને તેમાં આ પ્રજાતિ શામેલ છે ડ્રેગન રક્ત વૃક્ષ જે ખરેખર આ લાલ રેઝિનને લોહી વહે છે. અને બીજું કંઈક છે. સોકોત્રા પરના લોકો તેમાંથી કેટલાક હજી ગુફાઓમાં રહે છે અને તે ખરેખર આકર્ષક છે કારણ કે તેનો અર્થ જો ગુફા છે તો આ સદીમાં મુખ્ય સ્થાવર મિલકત છે. કદાચ તે થોડો હજાર વર્ષ પહેલાં હતું. પરંતુ અમને સાબિત કરવા માટે ડેટાની જરૂર છે, અવશેષો, પથ્થરનાં સાધનો, અને તેથી અમારી સ્કાઉટિંગ ટીમે અન્ય વૈજ્ઞાનિકોએ સાથે મળીને કામ કર્યું છે, માનવશાસ્ત્ર અને કથાકારો, આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક, અહેમદ અહેમદ અલારકબીની જેમ અને અમે ભયાવહ છે આ સ્થાન પર પ્રકાશ પાડવો તે ખૂબ મોડું થાય તે પહેલાં. અને હવે આપણે ફક્ત કોઈક રીતે પાછા આવવાની જરૂર છે તે ખરેખર મોટી અભિયાન માટે. તમે લોકો રહ્યા છે ખરેખર સુંદર પ્રેક્ષકો. રોબોટિસ્ટ તરીકે ઘણા પ્રશ્નો પૂછવામાં આવેસે. જ્યારે તેઓ શરૂ કરીશું મને સવારનો નાસ્તો પીરસો છો તેથી મેં રોબોટિક્સનું ભવિષ્ય વિચાર્યું અમારા જેવા વધુ દેખાશે. મેં વિચાર્યું કે તેઓ મારા જેવા દેખાશે તેથી મેં આંખો બંધાવી તે મારી આંખોનું અનુકરણ કરશે. મેં આંગળીઓ બાંધેલી છે કે જે કપરી છે મારી સેવા કરવા માટે પૂરતી. આના જેવા ક્લાસિકલ રોબોટ્સ બાંધવામાં આવે છે અને કાર્યાત્મક બને છે નિશ્ચિત સંખ્યાના આધારે સાંધા અને કાર્યકારી. આનો અને આનો અર્થ છે તેમની કાર્યક્ષમતા અને આકાર પહેલાથી નિશ્ચિત છે તેમની કલ્પનાની ક્ષણે. તો પણ આ હાથ ખરેખર સરસ થ્રો છે તે અંતમાં ત્રોનાય પણ ફટકારે છે. તે તમને રસોઇ બનાવવા માટે નથી, ના દીઠ નાસ્તો. તે સ્ક્રેમ્બલ ઇંડા માટે ખરેખર યોગ્ય નથી.